સત્તાધારના સંત જીવરાજબાપુને હજારો શ્રદ્ધાળુઓએ અશ્રુભીની આંખે સમાધિ આપી એલર્ટ રાજ્યમાં તહેવારો દરમ્યાન આતંકી હુમલા અંગે મળેલા ઇનપુટને પગલે સમગ્ર કચ્છના બોર્ડર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચેકપોસ્ટ ઉભી કરી પોલીસે વાહનોનું ચેકીંગ નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે રાજ્યના આરોગ્ય અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે એવા કરોડો નાગરિકોને માળખાકીય સવલતો પૂરી પાડવા રાજય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે જેના પરિણામે જ ગુજરાત આજે દેશનું રોલ મોડલ બન્યું છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સૌરાષ્ટ્રના તીર્થ સેવાધામ સતાધારની આપા ગીગા જગ્યાના મહંત પૂજય જીવરાજ બાપુના દેહવિલય અંગે દુઃખની લાગણી વ્યકત કરી સદ્દગતને ભાવાંજલી પાઠવી છે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેગ્યું અને મેલેરિયાના કેસોની સંખ્યા ઓછી છે આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી સહિત અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં આજે સવારે સત્તાધારની જગ્યામાં તેના નશ્વર દેહને અંતિમ દર્શનાર્થે રખાતાં સૌરાષ્ટ્રભરમાંતી સંતો અને તેમના શિષ્યો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અમારા પોરબંદરના પ્રતિનિધિના જણાવ્યા મુજબ પોરબંદરમાં માછીમારી કરતા બોટ માલિકોને ડીઝલમાં વેટ રાહત યોજના હેઠળ વેટ રિફન્ડ ચુકવણી બાકી હતી રાજયમાં જનજન સુધી યોગના પ્રચારપ્રસાર માટે મુખ્યમંત્રીશ્રીએ ગત એકવીસ જૂન વિશ્વયોગ દિવસે ગુજરાત રાજય યોગ બોર્ડની રચનાની જાહેરાત કરી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત રાજય યોગ બોર્ડના અધ્યક્ષ તરીકે અમદાવાદના શ્રી શીશપાલ શોભરામ રાજપૂતની નિમણુંક કરી છે ડાંગ જિલ્લામાં સાપુતારા વઘઈ ચેકપોસ્ટ પર ડાંગ પોલીસ વાહનો ચેકીંગ કરી રહી છે જેના અંગે બોટ એસોસીએશને નાયબ મત્સ્યોદ્યોગ નિયામકને રજૂઆત કરી હતી કિસાન પેન્શન માનધન યોજનામાં ખેડૂતોને સાઈઠ વર્ષની વય બાદ મહિને ત્રણ હજારનું પેન્શન મળશે ચન્દ્રસિંહ ગંભીરસિંહજી ઝાલા અને શ્રીમતી હિમાબહેન મેહુલભાઈ પરીખની નિમણુંક કરવામાં આવી છે માં જમા કરાવશે આ યોજના મરજિયાત રહેશે અને યોજનામાં દાખલ થનારે સાઈઠ વર્ષ સુધી પ્રીમીયમ ભરવાનું રહેશે અમારા ડાંગના પ્રતિનિધિ જણાવે છે કે આતંકી હુમલાની દહેશતના પગલે મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ગીરીમથક સાપુતારા ખાતે ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે બોર્ડના અન્ય બિનસરકારી સભ્યો તરીકે સર્વશ્રી ભાનુકુમાર નરોત્તમદાસ ચૌહાણ પ્રકાશભાઈ પુરૂષોત્તમભાઈ ટિપરે ડૉ।